રેઈન્બો વર્લ્ડ પ્રિ-સ્કૂલમાં મેઘધનુષની જેમ સર્વગ્રાહી પદ્ધતિથી બાળકોને જ્ઞાન પીરસવામાં આવે છે. મેઘધનુષ શબ્દ થોડો અઘરો લાગે તે માટે રેઈન્બો વર્લ્ડ પ્રિ-સ્કૂલ નામ આપવામાં આવ્યું છે. અમારું એકસૂત્ર છે. શિક્ષણમાં ભારતીયતાનું પુનરુત્થાન. હકીકતમાં પ્રાચીન ભારતનું શિક્ષણ સર્વ શ્રેષ્ઠ છે. તેને કોઈ શિક્ષણ પદ્ધતિ પહોંચી શકે તેમ નથી. હાલના સમયમાંશિક્ષણ જરૂરી છે. નહિતર આવનાર સમયમાં દરેક વ્યક્તિ પોતાની સંસ્કૃતિ ભૂલી જશે. આધુનિકતાની સાથે સંસ્કૃતિનું જતન થવુંજોઈએ. એવુ મારું માનવું છે. નીરવ માનસેતાએ વધુમાં ઉમેર્યું કે ઘણા વાલીઓ મુંઝવણમા હોય છે કે તેઓ પોતાના સંતાનને ગુજરાતી માધ્યમમા ભણાવે કે અંગ્રેજી માધ્યમમાં. આટલું વિચારવું પડે છે તે આપણી કમનસીબી છે. વિશ્વના તમામ દેશો પોતાની માતૃભાષાને જીવંત રાખવા માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. ત્યારે આપણે પણતકેદારી રાખવી જોઈએ. વધુમાં આજે વિશ્વની સાથે ચાલવા માટે અંગ્રેજી ભાષા પણ જરૂરી છે. માટે અંગ્રેજી પણ શીખવુંજોઈએ. અંગ્રેજી શીખવી ખૂબ સરળ છે. જ્યારે ગુજરાતી શીખવું ખૂબ કપરું છે. હાલના સમયમાં પ્રિ સ્કૂલમા આવતા વિદ્યાર્થીઓ અંગ્રેજી તો ઘરેથીશીખીને આવતા હોય છે. જ્યારે કક્કો તેમને અહીં શીખવવો પડે છે. વધુમાં કહ્યું કે રેઈન્બો વર્લ્ડ પ્રિ-સ્કૂલમાં ભારતીયતાને જાળવી રાખવા માટે અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં બાળકોના જન્મદિવસની ઉજવણીમા કેક કટીંગ કરવાને બદલે તેમના વાલીને બોલાવીને યજ્ઞ કરવામાં આવે છે. સાથે બાળકોને દરરોજ તિલક કરવાનું, હાઈ- હેલ્લોની બદલે જય શ્રી કૃષ્ણ અથવા અન્ય દેવી દેવતાના નામ બોલવા, ઘરેથી નીકળે ત્યારે માતા પિતાના આશીર્વાદ લેવાના સંસ્કારો આપવામાં આવે છે. ઉપરાંત નાતાલને બદલે તુલસી દિવસ ઉજવવામાં આવે છે. આમ અહીં ભારતીય સંસ્કારોનું સીંચન કરવામાં આવે છે. નીરવ માનસેતાએ ઉમેર્યું કે બાળકો આપણી પરંપરાને ભૂલે નહિ તેવી પ્રવૃત્તિ અહીં કરાવવામાં આવે છે. રેરેઈન્બો વર્લ્ડ પ્રિ-સ્કૂલ ટ્રેડમાર્કથી સુરક્ષિત બની છે. અહીં નર્સરી, એલકેજી, યુકેજીના કોર્ષ કરાવવામાં આવે છે. અહીંથીવર્ષના બાળકોને નર્સરીમાં કવિતા, ઓરલ વર્ક તેમજ રમત ગમતની પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. જ્યારે એલકેજી અને યુકેજીના કોર્ષમાં સપ્તરંગી પદ્ધતિથી બાળકોને ભણાવવામાં આવે છે. નીરવ માનસેતાએ કહ્યું કે તેઓની રેઈન્બો વર્લ્ડ પ્રિ-સ્કૂલ મોરબી શહેરની મધ્યમાં આવેલ છે.